બસ સીધીથી સતના તરફ જઇ રહી હતી. ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને તે નહેરમાં પડી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવા કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે, પરંતુ લોકો ખેડુતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે શુભેચ્છા પાઠવી કે સંશોધન, નવીનતા અને રાષ્ટ્ર નિર્માણના ક્ષેત્રમાં દેશ સેવામાં સંકળાયેલા સૌને માતા સરસ્વતીના આશીર્વાદ મળે, અને તેઓ ઘણી સફળતા મેળવે. નવી દિલ્હીમાં અગિયાર મી વર્લ્ડ પેટ્રોલીયમ અને કોલસા અંગેની પરિષદ તથા વર્લ્ડ ફ્યુચર ફ્યુઅલ સમિટની સંયુક્ત પરિષદમાં તેમણે આ વાત કરી. નમસિવાયમ અને ઊસુડ મત વિસ્તારના ધારાસભ્ય થીપિંથન રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આઝાદી અને વિકાસ માટે યોગદાન અને બલિદાન આપનાર નેતાઓને ઇતિહાસમાં સ્થાન ના હોવાની બાબત કમનસીબ ગણાવી. દેશને પરવડે તેવા વૈશ્વિક મોડેલ ભારત બનાવી રહ્યું છે. એમ કહી શ્રી પ્રધાને જણાવ્યું કે, ભારત પોતાની વ્યુહરચના અને માર્ગ નક્કી કરશે. તેમણે કહ્યું કે મહારાજા સુહેલદેવ જેવા મહાન લોકોનું યોગદાન ભૂલી શકાય નહીં. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા સરોવરના નિર્માણ માટે શિલાન્યાસ બાદ તેમણે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે, મંત્રાલયે દસ શહેરો આગ્રા, બદલાપુર, ભુવનેશ્વર, ચુરુ, કોચી, મદુરાઇ, પટિયાલા, રોહતક, સુરત, અને તુમકુરમાં સર્વેક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત શ્રી રામા જોઇસે રાજ્યસભાના સભ્ય પણ હતા. આ પોર્ટલ દ્વારા લીઝના નવીકરણ જન્મ અને મૃત્યુના દાખલા માટે ઓનલાઇન નોંધણી તથા પાણી અને ગટર જોડાણ માટેની અરજી ઓનલાઇન થશે. મુખ્યમંત્રી શ્રી નારાયણસામી પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પ્રધાનમંત્રીએ વસંત પંચમીના આજના દિવસ નિમિત્તે પ્રાર્થના કરી કે મા સરસ્વતિની ઉપાસનાના આ દિવસે સમગ્ર રાષ્ટ્ર જ્ઞાન માટે ઉત્સાહિત બને. ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે શહેરી જળ જીવન મિશન અંતર્ગત પ્રાયોગિક ધોરણે પેય જળ સર્વેક્ષણ શરૂ કર્યું શ્રી ચૌહાણે જિલ્લા કલેકટર સાથે વાત કરી હતી અને બચાવ કામગીરી પર નજર રાખવા માટે રાજ્યના બે મંત્રીઓને સિધી ખાતે સ્થળ પર મોકલ્યા છે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઘટના અંગે દુખ વ્યક્ત કરી મૃતકના સગાઓને પાંચ લાખ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં યોગી આદિત્યનાથ સરકારે શેરડીના ખેડુતોની બાકી ચૂકવણી પૂરી કરી છે, અને બે લાખથી વધુ પરિવારોને ઘરૌની યોજના હેઠળ સંપત્તિના કાગળો મળી ગયા છે. ઉર્જા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, હરિત ઉર્જા માટે ભારત પોતાના આગવાં ધોરણો સ્થાપિત કરશે. કોંગ્રેસના કામરાજ નગર મત વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય જહોન કુમારે આજે રાજીનામું આપ્યુ છે. આ કાર્યક્રમમાં મહારાજા સુહેલદેવની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જળ સર્વેક્ષણ ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે શહેરી જળ જીવન મિશન અંતર્ગત પ્રાયોગિક ધોરણે પેય જળ સર્વેક્ષણ શરૂ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આઝાદી અને વિકાસ માટે યોગદાન અને બલિદાન આપનાર નેતાઓને ઇતિહાસમાં સ્થાન ના હોવાની બાબત કમનસીબ ગણાવી છે. તેઓ નેવ્યાસી વર્ષના હતા. રવિચંદ્રન અશ્વિને પાંચ અને ઇશાંત શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી.